આ વિશે મોટા પાયે વિચાર કરો: શહેરોમાં, ત્યાં ઘણી બધી સપાટીઓ છે. સૂર્ય હજી પણ દરેક માટે ઉપલબ્ધ છે. અને સૌરને એકીકૃત કરીને જ્યાં અમને તેની જરૂર હોય ત્યાં, અમારી પાસે હવે બનાવવાની તક છે સૌર કોષો દરેક માટે સુલભ છે. હું સોલર લાવવા માંગુ છું તમારી સાથેના લોકોની નજીક, પરંતુ સુંદર અને સારી રીતે ડિઝાઇન કરેલું. આભાર. કમ્પ્યુટર ઓરડા જેટલા મોટા વપરાતા હતા. પરંતુ હવે તેઓ તમારા ખિસ્સામાં જાય છે,તમારા કાંડા પર અને શરીરની અંદર પણ કાર્યરત રોપી શકો છો. તે કેટલું સરસ કહેવાય? અને આ ટ્રાન્ઝિસ્ટરના લઘુકરણ દ્વારા સક્ષમ કરવા માંઆવ્યું છે,જેઓ સર્કિટ્સમાં નાના સ્વિચ છે આપણા કમ્પ્યુટર્સના હૃદયમાં. અને તે વિકાસના દાયકાઓ દ્વારા પ્રાપ્ત થયું છે અને વિજ્ઞાન અને ઈજનેરીમાં પ્રગતિઓ અને અબજો ડોલરનું રોકાણ. પરંતુ અમને સંખ્યાબંધ ગણતરીમાં આપવામાં આવ્યું છે, વિશાળ પ્રમાણમાં મેમરી અને ડિજિટલ ક્રાંતિ કે જે આપણે બધા અનુભવીએ છીએ અને આજે માણીએ છીએ. પરંતુ ખરાબ સમાચાર એ છે, અમે ડિજિટલ માર્ગ અવરોધિત કરીશું, લઘુચિત્રકરણ દર તરીકે ટ્રાન્ઝિસ્ટરનું કામ ધીમું થઈ રહ્યું છે. અને આ બરાબર તે જ સમયે થઈ રહ્યું છે સોફ્ટવેર તરીકે અમારી નવીનતા સતત અવિરતપણે ચાલુ છે કૃત્રિમ બુદ્ધિ અને મોટા ડેટા સાથે. અને અમારા ઉપકરણો ચહેરાની માન્યતા અને આપણી વાસ્તવિકતા નિયમિતપણે અથવા તો કાર નીચે ચલાવો અમારા વિશ્વાસઘાત, અસ્તવ્યસ્ત રસ્તાઓ. આ અદભૂત છે. પરંતુ જો અમે અમારા સો્ટવેરની ભૂખ સાથે ચાલુ રાખીએનહીં, અમે એક બિંદુ સુધી પહોંચી શકે છે અમારી તકનીકીના વિકાસમાં જ્યાં અમે કરી શકીએ તે વસ્તુઓ સોફ્ટવેર સાથે, હકીકતમાં, મર્યાદિત હોઈ શકે અમારા હાર્ડવેર દ્વારા. અને તે માત્ર દંડ કામ કર્યું જ્યારે આપણે તેને ખૂબ લાંબા સમય પહેલા ખરીધું ન હતું,પરંતુ સમય જતાં ભૂખ્યા ભૂખ્યા સોફ્ટવેર એન્જિ નિયરોએ બધી હાર્ડવેર ક્ષમતા ઉઠાવી લીધી છે સેમિકન્ડક્ટર ઉદ્યોગ આ ખૂબ જ સારી રીતે જાગૃત છે અને કાર્યરત છે તમામ પ્રકારના સર્જનાત્મક ઉકેલો, જેમ કે ટ્રાંઝિસ્ટરથી આગળ વધવું ક્વોન્ટમ કમ્પ્યુટિંગ માટે અથવા ટ્રાંઝિસ્ટર સાથે પણ કામ કરી રહ્યા છે વૈકલ્પિક સ્થાપત્યમાં જેમ કે ન્યુરલ નેટવર્ક વધુ મજબૂત બનાવવા માટે અને કાર્યક્ષમ સર્કિટ્સ. પરંતુ આ અભિગમો થોડો સમય લેશે, અને આપણે ખરેખર ઘણું બધુ શોધી રહ્યા છીએ આ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ. લઘુચિત્રકરણનો દર શા માટે છે ટ્રાંઝિસ્ટરનું કામ ધીમું થઈ રહ્યું છે સતત વધતી જટિલતાને કારણે છે ઉત્પાદન પ્રક્રિયા. એક મોટું, ભારે ઉપકરણ ટ્રાંઝિસ્ટર તરીકે થતો હતો એકીકૃત સર્કિટની શોધ સુધી કે જે શુદ્ધ સ્ફટિકીય સિલિકોન વેફર પર આધારિત છે. અને પચાસ વર્ષ પછી સતત વિકાસ,અમે